ત્યારે ઉજવણીનાં તૃતીય દિવસે શ્રીમદ્ સત્સંગીજીવન કથામાં વક્તા શાસ્ત્રી કૃષ્ણસ્વરૂપસ્વામીએ નરનારાયણ દેવનો મહિમા વર્ણવ્યો હતો. દરમિયાન ધુન અને કિર્તનનાં નવા બે આલ્બમનું વિમોચન કરવાની સાથે સાથે દાતા પરિવાર દ્વારા સુવર્ણના વાઘા પણ નરનારાયણ દેવનાં ચરણોમાં અર્પણ કરવામાં આવ્યા હતા. સુવર્ણદાન સમયે મોટી સંખ્યામાં એનઆરઆઇ સહિતના હરિભક્તો હાજર રહ્યા હતા. પ્રસંગે દાતાઓએ મન મુકીને સોનું દાન કર્યું હતું. કરોડો રૂપિયાના સોનાના આભૂષણો ભગવાનને ભેટ અપાયા હતા. સોનાના વાઘા લઈ વાજતે ગાજતે આવ્યા દાતા દ્વારા ભગવાન કૃષ્ણ, રાધાજી અને હરિકૃષ્ણ મહારાજ માટે સુવર્ણ વાઘા અર્પણ કરવામાં આવ્યા તે પૂર્વે વાજતેગાજતે યજમાનો સુવર્ણ વાઘા લઇને કથા મંડપમાં આવ્યા હતા અને તેમણેવાઘા નરનારાયણ દેવનાં ચરણોમાં અર્પણ કર્યા હતાં. જેનો સદ્ગુરૂ મહંતસ્વામી ધર્મનંદનદાસે સ્વીકાર કર્યો હતો. ત્યારે આચાર્ય મહારાજ કૌશલેન્દ્રપ્રસાદ, ઉપમહંત સ્વામી ભગવદજીવન દાસ, કોઠારી પાર્ષદ જાદવ ભગત હાજર રહ્યા હતા અને સુવર્ણના વાઘા, સુવર્ણના હાર, સુવર્ણની મોજડી સહિતનાં આભૂષણોનો ફુલોથી અભિષેક કર્યો ત્યારે કોઠારી દેવપ્રકાશસ્વામી, શાસ્ત્રી સુકદેવસ્વરૂપસ્વામી, શાસ્ત્રી દેવચરણસ્વામી આદિ સંતો પણ જોડાયા હતા. સમગ્ર સુવર્ણદાન પ્રસંગને માણવા માટે મોટી સંખ્યા એનઆરઆઇ સહિતનાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતાં અને દિવ્ય માહોલની અનુભૂતિ કરી હતી. ઉત્સવમાં અનેક લોકો નરનારાયણ દેવ પ્રત્યે પોતાનો ભાવ, પ્રેમ ભગવાન પ્રત્યેરીતે સુવર્ણદાન અર્પણ કરીને વ્યક્ત કરી રહ્યા છે. આલ્બમનું થયું વિમોચન પ્રારંભમાં ત્રણ આલ્બમ પણ લોન્ચ કરવામાં આવ્યા હતાં. જે આબ્લમ લોન્ચ કરવામાં આવ્યા તેમાં તેમાં એક સ્વામિનારાયણની ધુન અને બીજુ આલ્બમ સ્વામિનારાયણ સંપ્રદાયના નંદ સંતો રચિત વંદુ શહજાનંદમાં સંપૂર્ણ સ્વર ભુજ મંદિરનાં ગાયક સંતોએ આપ્યો છે.